તમે તેના વિશે કંઇ કરી શક્યા નહીં. માય જનરેશન અને મને પછી એશિયાન એશિયાનો પેઢી માને છે કે આપણે ચાર્જ લઈ શકીએ છીએ અને આપણે આપણા જીવનમાં સુધારો કરી શકીએ છીએ અને આ સમજાવી શકે છે. ઉદાહરણ તરીકે, ઉદ્યોગ સાહસિકતા તમે આજે સમગ્ર એશિયામાં જુઓ અને જો તમે આજે એશિયામાં મુસાફરી કરો છો, તમે પરિણામો પણ જોશો. હવે સુશાન સુશાસનના પરિણામે એશિયામાં મુસાફરી તમે વધુ સારી રીતે આરોગ્ય સંભાળ જોશો, સારું શિક્ષણ, વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સારી જાહેર નીતિઓ. તે એક અલગ દુનિયા છે. હવે વિશ્વનું પરિવર્તન કર્યું છે પશ્ચિમી ડહાપણની વહેંચણી દ્વારા બાકીની દુનિયા સાથે. તાર્કિક અને તર્કસંગત પ્રતિભાવ પશ્ચિમમાં હોવું જોઈએ કહેવા માટે, "અરે, આપણે સમોયોજીત સમાયોજિત કરવું પડશે અને આ નવી દુનિયામાં અનુકૂલન મેળવો." તેના બદલે, પશ્ચિમી દેશો સૂઈ જવાનું પસંદ કરે છે. કેમ શું થયું? હું માનું છું કે તે બન્યું કારણ કે પશ્ચિમ વિચલિત થઈ ગયું બે મુખ્ય ઘટનાઓ સાથે. પ્રથમ ઘટના શીત યુદ્ધનો અંત હતો. હા, શીત યુદ્ધનો અંત એક મહાન વિજય હતો. પશ્ચિમે શકિતશાળી સેવિ સોવિયત સંઘને હરાવ્યો કોઈ ગોળી ચલાવ્યા વગર. અમેઝિંગ! પરંતુ તમે જાણો છો, જ્યારે તમારી પાસે છે આ જેમ એક મહાન વિજય, તે ઘમંડ અને હુબ્રી તરફ દોરી જાય છે? હવે, ફુકુયમા આજુબાજુ મૂકી રહ્યો હતો એક ખૂબ જ વ્યવહારદક્ષ સંદેશ પરંતુ તે બધાં પશ્ચિમ આંત આ નિબંધ પરથી સાંભળ્યું કે આપણે ઉદાર લોકશાહીઓ અમે સફળ થયા, આપણે બદલવાની જરૂર નથી, આપણે અનુકૂળ થવું નથી. તે ફક્ત બાકીની દુનિયા છે કે બદલવા અને સ્વીકારવાનું છે. દુર્ભાગ્યે, એક ખતરનાક અફીણની જેમ આ નિબંધ ઘણો કર્યું પશ્ચિમમાં મગજને નુકસાન કારણ કે તે સૂઈ ગયું છે ચોક્કસ ક્ષણ પર જ્યારે ચીન અને ભારત જાગતા હતા અને પશ્ચિમે સમાયોજિત કર્યું અને અનુકૂલન ન કર્યું. અને જેમ આપણે જાણીએ છીએ નાઈન ઈલેવેનના કારણે આઘાત અને દુઃખ ઘણો. મેં અંગત રીતે અનુભવ કર્યો આઘાત અને દુઃખ કારણ કે હું મેનહટનમાં હતો જ્યારે નાઈન ઈલેવેન થયું. નાઈન ઈલેવેને પણ ઘણો ગુસ્સો પેદા કર્યો અને આ ક્રોધમાં યુનાઇટેડ સ્ટેટ્સ અફઘાનિસ્તાન પર આક્રમણ કરવાનું નક્કી કર્યું અને પછીથી ઇરાક. અને કમનસીબે આંશિક રીતે આ ક્રોધના પરિણામે, પશ્ચિમમાં ધ્યાન નથી આવ્યું બીજી ઘટનાનું મહત્વમાં પણ તે બન્યું હતું. ચીન વિશ્વ વેપાર સંગઠનમાં જોડાયો. પશ્ચિમી કામદારોએ તેમની નોકરી ગુમાવી. તેઓએ તેમની આવક સ્થિર જોઈ, સ્પષ્ટ રીતે લોકોને વિચારવું પડ્યું નવી સ્પર્ધાત્મક નીતિઓ વિશે, કામદારોને ફરીથી તાલીમ આપવાની જરૂર હતી, કામદારોને નવી કુશળતાની જરૂર હતી. આના પરિણામે, તે આખરે ચૂંટણી તરફ દોરી ગઈમાં ડોનાલ્ડ ટ્રમ્પના, જેણે ગુસ્સોનો ઉપયોગ કર્યો કામકાજી વર્ગના, જેઓ મુખ્યત્વે સફેદ હોય છે. તે ફાળો આપે છે યુરોપમાં પપ્યુલીઝમના ઉદય સુધી. અને બધાએ વિચાર્યું શું આ જનતા ટાળી શકાય? જો પશ્ચિમમાં ધ્યાન ભટકાઈ ન ગયું હોય શીત યુદ્ધનો અંત અને નાઈન ઈલેવેન સુધીમાં?